ખાસ કરીને ખેત પેદાસો પર પોતાનો જીવન નિર્વાહ ચલાવતા પરિવારો માટેસમય અત્યંત મુશ્કેલી ભર્યો પણ રહ્યો છે. ગુજરાતમાં આજની વાત કરીએ તો, પોરબંદર, કચ્છ, અમરેલી સહિતના ઘણા વિસ્તારોમાં વરસાદ રહ્યો હતો. જ્યારે કેટલાક વિસ્તારોમાં તો વરસાદ મન મુકીને વરસ્યો છે. જોકે પોરબંદરના બરડા પંથકમાં આજે સોમવારે સવારના સમયે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. જેને પગલે બરડા પંથકના ખાંભોદર કુંવદર રામવાવ અને મોરાણા સહિતના ગામોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. મોઢવાડા ગામમાં પણ જેટલો વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદને કારણે ઉનાળુ પાકને નુકસાન થતાં ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. તરફ કચ્છમાં પણ અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાનો સીલસીલો યથાવત રહ્યો છે. ખેડૂતોના પાક જાણે સંપૂર્ણ બરબાદ થયા છે. સાવરકુંડલા શહેર સાથે બાઢડા, રામગઢ, ધજડી, સાકરપરા, જાબાળ, કૃષ્ણ ગઢ સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે. સતત પડતા કમોસમી વરસાદથી ખેતીપાકોને વ્યાપક નુકશાની થઈ છે. સાવરકુંડલા શહેરમાં નીચાણ વાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. સતત છઠ્ઠા દિવસે અમરેલી જિલ્લાને કમોસમી વરસાદે ધમરોળ્યો હતો. લીલીયા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. સાથેપુંજાપાદર, ગોઢાવદર, પીપળવા, સહિતના ગામોમાં ખેતીને ભારે નુકસાન થયું હતું. ઉપરાંત ધારી ગીર ગ્રામ્ય વિસ્તારમાં પણ છઠ્ઠા દિવસે કમોસમી વરસાદ નોંધાયો છે.